તમે પૂરતી તાલીમ લીધી નથી. જો તમે નિષ્ફળ જાવ તો? લોકો શું વિચારશે? મને ખાતરી છે કે દરેક વ્યક્તિ વિચારી રહ્યો છે અત્યારે તમે કેટલા ધીમા છો. " અમે બધા આપણી પોતાની આંતરિક રાક્ષસો, અમે નથી? દૈનિક જીવનમાં, તમે તેમની પાસેથી છુપાવી શકો, તમારા કામ પાછળ અથવા અન્ય ઘણા વિક્ષેપો. પરંતુ જેમ મેં કહ્યું, સમુદ્રની મધ્યમાં, છુપાવવા માટે ક્યાંય નથી. મારે મારા આંતરિક રાક્ષસોનો સામનો કરવો પડશે, જેટલું મારો સ્વાદ છે તેટલું ગોઠવો સમુદ્રમાં મીઠું, મારી ચામડી ઉપર છાપ મારવી, અને વ્હેલને સ્વીકારો. મારી બાજુમાં તરવું. હું તેને ધિક્કારું છું, અને હું તેને પ્રેમ કરું છું. હું તેને ધિક્કારું છું કારણ કે આ રમત મને મારી બાજુ બતાવે છે, તે હું અસ્તિત્વમાં હોવાનું માનવા માંગતો નથી. મારી બાજુ કે માનવ છે અને સંપૂર્ણ નથી. મારા ભાગને પસંદ કરો તે સવારે પથારીમાંથી બહાર નીકળી શકશે નહીં અને તેને પ્રેક્ટિસ કરવા માટે બનાવો. મારી બાજુ જે મળે છે ખૂબ બળીને, ખૂબ થાકેલા, તે ફક્ત સ્વિમિંગ છોડવા માંગે છે. પણ હું તેને પ્રેમ કરું છું, કારણ કે આ રમત મને આપી છે ક્ષણો કે જેના પર હું ફરી નજર કરી શકું જ્યારે હું એકીકૃત લાગે અને તેઓ મને મારા ઘૂંટણ પર લાવે, કારણ કે હું ખૂબ આભારી છું. તમારામાંના ઘણા નહીં નોન સ્ટોપ તરવા માટે કલાકો પસાર કરો. પરંતુ તમે કોણ ખર્ચ કરો છો સાથે તમારા સમયનો સૌથી વધુ પ્રમાણ? તમે તમારી બાહ્ય જગ્યા શેર કરી શકો છો અન્ય ઘણા લોકો સાથે, પરંતુ ત્યાં એક સતત સાથી છે જે તમારી પાસે છે. તમે અને હજી સુધી, આપણામાંના મોટા ભાગના ક્યારેય આવી શકશે નહીં.આપણે ખરેખર કોણ છે તે જાણવું. હું એક પુત્રી, એક ભારતીય, એક તરણવીર, એક વિદ્યાર્થી. પરંતુ હું ઘણું વધારે છું. જો તમે તમારી જાતમાં રોકાણ નથી કરતા, કોઈ રસ્તો સેટ કરતો નથી તે તમને તમારી નજીક લાવે છે, જીવનમાં સફળતા નો જથ્થો તમને કાયમી આનંદ અથવા સંતોષ લાવી શકે છે. આજે પણ, હું મારી જાતને પૂછું છું, "શું હું હમણાંથી કરી શકું તે શ્રેષ્ઠ છે? " અને મારા "શ્રેષ્ઠ" ફેરફારોનો અર્થ. કેટલાક દિવસોમાં, તેનો અર્થ એ છે કે હાર ન માનવી, થીજી રહેલા પાણીમાં તરવાનું ચાલુ રાખવું અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. પરંતુ બીજા ઘણા દિવસો પર, તેનો અર્થ થાય છે મારા ઉદાસીન વિચારો, ઘરની બહાર નીકળવું અને રોજિંદા કામકાજ કરવામાં સમર્થ છે. શું તે બદલાતું